બાર હજાર પાવર ધરાવતું આ ઇંજિન છ હજાર ટન વજન સાથેની માલ ટ્રેનને સો કિલો મીટરની ઝડપે દોડાવવાની ક્ષમતા ધરાવે છે. બનાવની જાણ થતાં જ અગ્નિ શમન અને પોલીસ ટુકડીઓએ સ્થળ ઉપર પહોંચી જઈને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના આ સમયગાળામાં વધુ ભાવિકો એકઠા થવાની સંભાવનાને પગલે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ સાથે આ યોજના હેઠળ વીસ કિલોમીટર લાંબો પૂર સંરક્ષણ પાળો બનાવાશે. જેનાથી આ વિસ્તારમાં નદીના બંને કાંઠાથી ખેતીલાયક જમીનોની ધોવાણની સમસ્યા ઉકેલાશે, અને સત્તર ગામોને પૂરની સામે રક્ષણ મળશે. આ સાથે જ કોવિડના દર્દીઓના અત્યાર સુધીમાં કરાયેલા પરિક્ષણોની સંખ્યા નવ લાખ ત્રણ હજાર સાત સો બ્યાસી થઈ છે. ગઈકાલે કોવિડના નવ સો સત્તર દર્દીઓ સાજા થતાં. કોવિડના સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા પચાસ હજાર ત્રણ સો બાવીસ થઈ છે. ગઈકાલથી સુરત એરપોર્ટ પર આવનાર તમામ મુસાફરોનું રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતું. ફિસ્ટ કાર્યક્રમ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શૈક્ષણિક સંસ્થાઓ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધા વધારવા ભંડોળ આપે છે. આ નવ રાજ્યો આ મુજબ હરિયાણા, ગોવા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, ત્રિપુરા તથા જમ્મુ અને કાશમીર, આ વર્ષની શરૂઆતમાં ચૌદ રાજ્યોના કેન્દ્રોની આધુનિકીકરણ માટે પસંદગી કરાઇ હતી. એવી જ રીતે લોકો હવાના પ્રદૂષણ અંગે પોતાના સૂચનો અને પ્રશ્નો અગાઉથી મોકલી શકશે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે દેશના ભૌગોલિક વિસ્તાર અને વિવિધતાને ધ્યાનમાં રાખીને રસી ઝડપી રીતે પહોંચે તેની ખાતરી કરવી જોઇએ. કેન્દ્રિય રમત ગમત મંત્રી કિરણ રીજીએ જણાવ્યું છે કે, આધુનિકીકરણમાં પાયાની માળખાકીય સુવિધાઓ તથા રમતો માટે શ્રેષ્ઠ સુવિધાઓ વિકસાવવામાં આવશે. જ્યારે બાંગ્લાદેશ મ્યાનમાર કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લીનીકલ ટ્રાયલ કરવાની રજૂઆતો મળી છે. કોવિડ-નાઈનટીન ની રસી આપવા માટેના રાષ્ટ્રીય નિષ્ણાંત ગ્રૂપે રાજ્ય સરકારો અને બધા જ હિતધારકો સાથે રહીને રસીના સંગ્રહ વિતરણ અને રસી આપવા માટે તૈયાર કરેલું વિસ્તૃત આયોજન રજૂ કર્યું હતું. સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની જાણકારી લોકોને આપશે. તેમણે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને વિકાસલક્ષી પ્રોજેક્ટના કામોની સમીક્ષા કરી હતી. આ નિર્ણય મુજબ સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગો સંશોધન અને વિકાસ માટે જરૂરી પ્રયોગો માટે જુદી-જુદી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઉપલબ્ધ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધાઓ અને ઉપકરણોનો ઉપયોગ કરી શકશે. પોલીસના જણાવ્યા અનુસાર હરીસ પમ્પોર અને કાકાપોરા વિસ્તારોમાં હથિયારો અને દારૂગોળાની હેરફેર કરવામાં આતંકવાદીઓને મદદ કરતો હતો, અને આતંકવાદીઓને રહેવા માટેની સગવડ પણ પૂરી પાડતો હતો. આ પ્રસંગે કુલગામના જિલ્લા વિકાસ અધિકારી શૌકત ઐઝાઝે તેમને અત્યાર ચાલી રહેલા વિકાસ કામો અંગે માહિતીગાર કર્યા હતા. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર ફેસબુકના માધ્યમથી લોકો સાથે પ્રદૂષણ અંગે આજે સાંજે પાંચ વાગે સંવાદ કરશે. અત્યાર સુધીની કામગીરી, વ્યવસ્થાપન, જે તે રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિ વગેરે માપદંડોના આધારે કૌશલ્ય વિકાસ કેન્દ્રોની આધુનિકીકરણ માટે પસંદગી કરવામાં આવી છે. શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, આ સંવાદ દરમિયાન તેઓ કેન્દ્રની.